તેથી, ચેપનું જોખમ ઘટાડવા માટે, મોં પર માસ્ક પહેરો. ચીનમાં આ રોગ કેવી રીતે ફેલાયો? બ્રુસેલોસિસ નામનો બેક્ટેરિયલ ચેપ શ્વાસ દ્વારા ફેલાય છે. આ ચેપ માટે જવાબદાર ોંગ્મુ લ ન્ઝો નામની ફાર્માસ્યુટિકલ કંપની છે, જેનું ચેપ ગયા વર્ષે ભૂલથી લિક થઈ ગયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે પ્રાચીન જીવાણુનાશકો અને સેનિટાઇઝર્સનો ઉપયોગ બ્રુસેલા રસી બનાવવા માટે પ્રાણીઓને ચેપથી બચાવવા માટે કરવામાં આવ્યો હતો. ચેપથી અત્યાર સુધીમાં કેટલું નુકસાન? રસીના ઉત્પાદન વચ્ચે ફેક્ટરીમાંથી કચરો ગેસ નીકળ્યો, જેમાં બેક્ટેરિયા છે. ગેસ લીક થતાં જ નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને ચેપ લાગવાનું શરૂ થયું. જો કે, હજી સુધી ચેપ મૃત્યુનો એક પણ કેસ નોંધાયેલો નથી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, સકારાત્મક લોકોની સંખ્યા ધારણા કરતા વધારે હોઈ શકે છે. ત્યાર બાદ ભારત ચીનને સબક શીખવાડવા આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલાંઓ ભરી રહ્યું છે. પણ ચીન સાથેની આપણી નિર્ભરતા રાતોરાત ઘટી નહીં જાય. અને એ જ કારણ છે કે, ચીન અવારનવાર આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે.